પરંતુ હવે તે એકદમ સ્વસ્થ છે. તે જ સમયે, તેના ભાઈ રાજીવ સેને સુષ્મિતાના સ્વાસ્થ્ય પર એક પોસ્ટ શેર કરી છે. સુખ હોય કે દુઃખ, સુષ્મિતા સેન અને રાજીવ સેન દરેક પ્રસંગે એકબીજાને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. ગુરુવારે સુષ્મિતાએ ખરાબ દિવસોની વાત કરતા પિતા સુબીર સેન સાથે હસતો ફોટો શેર કર્યો હતો. પોસ્ટમાં તેણે જણાવ્યું કે તેની તબિયત બગડી ગઈ છે. અભિનેત્રીને હાર્ટ અટેક આવ્યો હતો, તેણીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સુષ્મિતા સેનની પોસ્ટ વાંચ્યા બાદ ઘણા લોકો તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. તેના ભાઈ રાજીવ સેને પણ એક પોસ્ટ શેર કરી છે. સુષ્મિતા સેન સાથેનો ફોટો શેર કરતા રાજીવે લખ્યું તું માય સ્ટ્રોંગેસ્ટ ભાઈ લવ યુ ધ મોસ્ટ રાજીવ સેને આ પોસ્ટ સાથે હાર્ટ ઇમોજી પણ બનાવ્યું છે. બહેન સુષ્મિતા સેન માટે રાજીવની પોસ્ટ જણાવે છે કે ભાઈ-બહેનનું બોન્ડ ખરેખર ખૂબ જ ખાસ છે. રાજીવ સેન પછી ચારુ આસોપાએ પણ સુષ્મિતા સેન માટે એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. સ્ટોરી શેર કરતાં ચારુ લખે છે, 'લવ યુ દીદી. તમે મોટા દિલ વાળી સૌથી મજબૂત મહિલા છો. પોસ્ટમાં સુષ્મિતા સેને જણાવ્યું કે તેને યોગ્ય સમયે સારવાર મળી, જેના કારણે તે સાજી થઈ ગઈ. આ માટે તેણે અનેક લોકોનો આભાર પણ માન્યો હતો. સુષ્મિતા સેન જણાવે છે કે તેમની તબિયત બગડ્યા બાદ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા, આ પગલાંથી તેમનો જીવ બચી ગયો હતો. આગામી પોસ્ટમાં, સુષ્મિતા સેન તે લોકોનો ઉલ્લેખ કરશે, જેમના કારણે તેને યોગ્ય સમયે સારવાર મળી. ચાહકો માટે પ્રેમ વ્યક્ત કરતા ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેને કહ્યું કે ફરી એકવાર તે પોતાનું જીવન ખુલ્લેઆમ જીવ જીવવા માટે તૈયાર છે. બીજી તરફ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુષ્મિતા સેન આ દિવસોમાં આર્ય ત્રણના શૂટિંગમાં વ્યસ્ત છે. આર્ય અને આર્ય બે ની સફળતા બાદ ચાહકો આર્ય ત્રણ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.